ગુજરાત રાજ્યના વેરાવળ શહેરમાં પ્રભાસ પાટણમાં આવેલું સોમનાથ મહાલય, એટલે ભગવાન શિવના બાર જ્યોતિર્લિંગમાંનું પ્રથમ જ્યોતિર્લિંગ. સોમનાથ મંદિરની આભા, સકારાત્મક વાતાવરણ, બાજુમાં ખળભળ વહેતો સમુદ્ર શિવભક્તિમાં લીન થવા માટે અદ્ભુત વાતાવરણ પૂરું પાડે છે. તો ચાલો જઈએ શ્રદ્ધાળુઓના ભક્તિ ધામ એવા વિશ્વવિખ્યાત સોમનાથ મહાદેવ જ્યોર્તિલિંગના ઈતિહાસમાં.. સોમનાથનું પહેલું મંદિર આશરે વર્ષ પહેલાં મધ્ય કાલીન યુગમાં અસ્તિત્વમાં આવ્યું હોવાનું કહેવાય છે. ઈસ વીસન છસો ઓગનપચાસ ની સાલમાં વલ્લભીવંશના શાસક રાજા મૈત્રકે પહેલા મંદિરનો જીર્ણોદ્ધાર કરી તેના સ્થાને બીજુ મંદિર બનાવ્યું હતું. પરમારોના એક શિલાલેખ મુજબ માળવાના ભોજ પરમારે અહીં મંદિર બંધાવ્યું હતું. આ મંદિર તેર માળ ઊંચું હતું જેના દ્વાર હીરાજડિત હતા. તેની ઉપર ચૌદ સુવર્ણ કળશો વિરાજમાન હતા. તેની ઊંચે ફરકતી ધજાથી નાવિકો તેને સોમનાથનું મંદિર ધારી તે તરફ વહાણો હંકારતા. ઈસ વીસન સાતસો પંચાવન માં વલ્લભી સામ્રાજ્યના પતન સાથે આરબ આક્રમકોએ સોમનાથનું પતન કર્યું. ત્યારબાદ પ્રતિહાર રાજા નાગ ભટ્ટ બીજાએ ઈસ વીસન આઠસોપંદર માં ત્રીજી વખત લાલ પથ્થર વાપરી મંદિરનું નિર્માણ કર્યું. સોમનાથ મંદિર ઉપર મુસ્લીમ શાશક મહેમુદ ગઝનવી, સુલતાન મુઝ્ઝફરખાન ઉપરાંત ઔરંગઝેબ વિગેરે દ્વારા છ વખત આક્રમણ કરવામાં આવ્યું હતું. વર્ષ ઓગણીસો સુલ્તાલીસ ભારતના લોખંડી પુરુષ શ્રી સરદાર વલ્લભભાઈ પટેલે સોમનાથ મંદિરના પુનઃનિર્માણની પ્રતિજ્ઞા કરી અને ઓગણીસો એકાવનમાં આજના સોમનાથ મંદિરનું તેની મૂળ જગ્યા ઉપર જ સાતમી વખત નિર્માણ થયું. અગિયાર મે ઓગણીસો એકાવન ના દિવસે જયારે મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થઈ ત્યારે તે સમયના ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્ર પ્રસાદે જ્યોર્તિલિંગની પ્રતિષ્ઠાન વિધિ કરી ત્યારે કહ્યું હતું- "સોમનાથનું આ મંદિર વિનાશ પર નિર્માણના વિજયનું પ્રતિક છે. એ સમયે એક સો એક તોપોનું મહાદેવજીને સન્માન અપાયું. નૌકાદળે સાગરમાંથી તોપો ફોડી અને સેંકડો બ્રાહ્મણોએ વેદઘોષ કરીને પ્રતિષ્ઠા કરી. આવા વિજયઘોષ સાથે સોમનાથ મંદિરને દાર્શનિકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું. સોમનાથ મંદિરનું નિર્માણ શ્રી સોમનાથ ટ્રસ્ટ હેઠળ થયું છે. શ્રી સરદાર પટેલ આ ટ્રસ્ટનાં પ્રથમ ચેરમેન હતાં અને ભુતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ પણ આ પદે રહ્યા હતા. ચાલુક્ય શૈલીથી બંધાયેલું સોમનાથ મંદિર "કૈલાશ મહામેરુ પ્રાસાદ મંદિર: ગુજરાતના સોમપુરા કારીગરોની કલાનું અદ્ભુત પ્રદર્શન છે. સોમનાથ મંદિરના જીર્ણોદ્વારમાં મહારાણી અહલ્યાબાઈનો વિશેષ ફાળો છે. સોમનાથ મંદિરની શિખર પર લગાવેલો ધ્વજસ્તંભ સત્યાવીસ ફીટ ઉંચો છે, જે દિવસમાં ત્રણ વખત બદલાય છે. સોમનાથ મંદિરના શિખરે સ્થિત કળશનું વજન દસ ટન છે! ગુજરાતના પશ્ચિમ અરબી સમુદ્રના કિનારે આવેલું સોમનાથ મંદિર ભારતનું એકમાત્ર એવું મંદિર છે, જેનો અનેક વખત જીર્ણોદ્વાર કરવામાં આવ્યો છે. સોમનાથ મંદિરના સંદર્ભો શ્રીમદ ભગવદ્ગીતા, સ્કંધપુરાણ, શિવ પુરાણ તેમજ ઋગ્વેદમાં નોંધવામાં આવ્યા છે, જે આ મંદિરને પવિત્ર યાત્રાધામ બનાવે છે. કહેવાય છે કે સોમનાથમાં ભગવાન